ત્રણ વર્ષ પહેલાં, ટ્રેન વૈશ્વિક સંસ્થાઓ એક સાથે આવી હતી અને એક ફ્રેમવર્ક પાછળ ગોઠવાયેલ જે એક વ્યાપક પધાતિસરનો અભિગમ છે બાળકો સામે હિંસા અંત. તેને પ્રેરણા કેહવામાં આવે છે. તે સંબંધિત કાયદા માટે જરૂર જુએ છે સામાજિક ધોરણોને સંબોધન, માતાપિતા અને સંભાળ આપનાર સપોર્ટ, પ્રત્યુતરો બાળકોના જેણે હિંસા અને દુષ્ટચારને અનુભવ્યા છે જેથી બાળકો ભણતરવાળા પર્યાવરણ રહી શકે અને ખીલી શકે. યુગાન્ડામાં ચાર વર્ષ પહેલાં એક આઠ વર્ષની છોકરી થર્ટી વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી હતી. તે હવે થઈ શકશે નહીં. ચિલ્ડ્રન એકટે તેને ગેરકાયદેસર બનાવ્યું અને લગ્નની લઘુત્તમ વય એઈટીન નક્કી કરી. આથી હું પ્રેરણાર્થી છું. કંબોડિયામાં માતા પિતાનો સહયોગ વધતો જાય છે. માતા પિતા અને સંભાળ રાખનારનો સહયોગ સમગ્ર દેશમાં તેથી માતા પિતા તેમના બાળકોને ઉછેરવા સજ્જ બન્યા છે અને ઘરમાં અહિંસક રીતે શિસ્ત હોય છે. તે પ્રેરણા નો પ છે "માતા પિતા અને સંભાળ રાખનારનો સહયોગ." ફિલિપાઇન્સમાં મહિલાઓ અને બાળકોને દેશભરમાં બચાવવા માટે હન્ડ્રેડ કેન્દ્રો સ્થાપિત છે. સ્ત્રીઓ અને બાળકો કે જેઓને દુરુપયોગ અને હિંસાનું ઉચ્ચ જોખમ છે અથવા હિંસા અનુભવી છે. તે પ્રેરણા નો ર છે "પ્રતિસાદ અને સહાયક સેવાઓ." અને યુગાન્ડામાં, સલામત શાળાઓ સેવાઓમાં વધારો કરવામાં આવ્યું છે યુગાન્ડાના અડધા શિક્ષકો માટે. તેઓ અહિંસક શિસ્ત સાથે વર્ગ નિયંત્રિત કરવા માટે સજ્જ બન્યા છે. તે પ્રેરણા નો ણ છે "શિક્ષણ અને જીવન કુશળતા." તે ફક્ત કેટલાક મણકા છે ઇન્સ્પાયર માળખાના. પરંતુ વધુ અને વધુ દેશો તેનો અમલ કરવા કટિબદ્ધ છે. સ્થાનિક રૂપે અનુકૂળ કરો, તેને સંબંધિત માહિતી સાથે જણાવતા, એક સાથે યોજના બનાવો, ક્ષેત્રોમાં કામ કરતા અને તે શૂન્ય સુધીની યાત્રા શરૂ કરો. કેનેડા, મેક્સિકો, સંયુક્ત આરબ અમીરાત, તાંઝાનિયા, સ્વીડન અને યુગાન્ડાનો ઉલ્લેખ કર્યો. જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વધુ અને વધુ દેશો અને હવે શહેરો પણ. અને અહીં જ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ યુનિવર્સિટી લર્નિંગ લેબો સ્થાપિત કરી રહ્યું છે. સ્કોટલેન્ડના શેહરોના પ્રવાસનો હિસાબ રાખવા જઈ રહ્યું છે. અને ફિલિપાઇન્સ અને કોલમ્બિયા સાથે આગળ વધી રહ્યા છે. શહેરમાં શું થાય તે જુઓ, રાષ્ટ્રવ્યાપી કક્ષાએ અમલીકરણ માટે કંઈક તૈયાર કરી લો અને તેને શહેર સ્તરે નીચે લાવો જ્યાં આપણે માનીએ છીએ કે આપણે ખરેખર ઝડપી અને પ્રગતિશીલ બનાવી શકીએ છીએ ટૂંકા ગાળામાં. અને જ્યારે આપણે તે કરીએ કે સફળતા આગળ ફેલાવાશે લર્નિંગ લેબ દ્વારા એડિનબર્ગ યુનિવર્સિટી ખાતે. હિંસાને સમાપ્ત કરવી એ યોગ્ય વસ્તુ છે.